તેમણે કહ્યું, “તેઓએ તમને પસંદ કર્યા છે અને તેઓ ખરેખર, ખરેખર વિવિધ રીતે કાસ્ટ કરવા ઇચ્છે છે, પરંતુ જ્યાં સુધી ફિલ્મ નાણાકીય રીતે સફળ ન થાય ત્યાં સુધી તેઓ પહેલા શ્વેત ભૂમિકાને કાસ્ટ કરે છે.” તેમણે તૂટેલા હૃદય સાથે મને આ સંદેશ આપ્યો. તેમની સાથે વાત કરતાં મને જણાયું કે આ કંઈક ગડબડ છે. પરંતુ તેમ છતાં, અગાઉની સેંકડો વખતની જેમ, મને લાગ્યું કે મારા ચહેરા પર આંસુ વહી રહ્યાં છે. અસ્વીકારની પીડા મારામાં ઊભી થાય છે અને પછી શરમનો અવાજ મને ઠપકો આપે છે, “તમે પુખ્ત સ્ત્રી છો, નોકરી પર રડવાનું બંધ કરો.” હું વર્ષોથી મારી પોતાની નિષ્ફળતાને સ્વીકારવાની પ્રક્રિયામાંથી પસાર થતી આવી છું અને ત્યાર પછી ઊંડી શરમ અનુભવું છું કે હું આ અવરોધોને દૂર કરી શકી નહીં. પરંતુ આ વખતે મેં એક નવો અવાજ સાંભળ્યો. એ અવાજે કહ્યું, “હું કંટાળી ગઈ છું. મારી પાસે પૂરતું છે.” એ અવાજ સમજી ગયો કે મારા આંસુ અને મારી પીડા માત્ર નોકરી ગુમાવવા વિશે નહોતી. તેઓ ખરેખર મારા વિશે જે કહેવામાં આવી રહ્યું હતું તેના વિશે હતાં. મારા સમગ્ર જીવન દરમિયાન મારા વિશે અધિકારીઓ, નિર્માતાઓ, સંચાલકો, લેખકો, પ્રતિનિધિઓ, શિક્ષકો, મિત્રો અને પરિવાર દ્વારા જે કહેવામાં આવ્યું હતું, તે એ હતું કે હું ઓછું મૂલ્ય ધરાવતી વ્યક્તિ છું. મેં વિચાર્યું હતું કે સનસ્ક્રીન અને વાળ સીધા કરવાથી આ ઊંડે સુધી પ્રવેશેલી મૂલ્યવ્યવસ્થામાં પરિવર્તન લાવી શકીશ. પરંતુ તે ક્ષણે મને સમજાયું કે હું ખરેખર ક્યારેય સમુદાયને બદલવાની માંગ કરતી નહોતી. હું માત્ર એટલું જ પૂછવા માંગતી હતી કે મને અંદર આવવા દેવામાં આવે, અને એ બંને એક જ વાત નથી. હું સમુદાય મારા વિશે શું માને છે તે બદલી શકી નહીં, જ્યાં સુધી હું પોતે સમુદાય મારા વિશે શું માને છે તે માનતી રહી. અને મેં એવું જ કર્યું હતું. હું, મારી આસપાસના દરેક વ્યક્તિની જેમ, એવું માનતી હતી કે મારા સ્વપ્નમાં હું જે બનવા માંગતી હતી તે શક્ય નથી, અને હું મારી જાતને અદૃશ્ય બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ અનુભવે મને એક વાત સમજાવી: જે વ્યક્તિ ખરેખર પરિવર્તન જોવા માંગે છે અને જે વ્યક્તિ વસ્તુઓને જેવી છે તેવી જ રાખવા માટે પગલાં લે છે, બંને પ્રકારના લોકો અસ્તિત્વમાં છે. અને તેના કારણે મને વિશ્વાસ થયો કે માત્ર સારા અને ખરાબ લોકોની ઓળખ કરીને પરિવર્તન નહીં આવે. એ વાતચીત આપણા બધાને જવાબદારીમાંથી મુક્ત કરી દે છે, કારણ કે આપણામાંના મોટાભાગના લોકો સંપૂર્ણપણે આમાંથી કોઈ એક નથી. પરિવર્તન ત્યારે આવશે જ્યારે આપણામાંના દરેકમાં પોતાના મૂળભૂત મૂલ્યો અને માન્યતાઓ પર સવાલ ઉઠાવવાની હિંમત હશે.